હુકમચંદ બોલ્યા: નામદાર, હું શું કહું છું તમે મારું અપશુકનિયાળ મોઢું જોયું તો ઘણી જ ખરાબ ઘટનાઓ બની. તે બદલ હું દિલગીરી છું. પણ મને વિચાર આવે છે કે મેં તો તમારૂં જ મોંઢું જોયું હતું અને મને ફાંસી મળી. હવે આપ જ કહો -વધારે અપશુકનિયાળ મોંઢું જ કોનું? રાજા તો વિચારમાં પડી ગયા. પછી હસતા હસતા બોલ્યા: છોડી દો શેઠને અને માન સાથે તેમને દરબારમાં લઈ આવો. બધા જ બિરબલની ચતુરાઈથી ખુશ થઈ ગયા અને રાજા પણ બોલી ઉઠ્યા: બિરબલ, તું નાહોત તો આ ગુણવાન શેઠને ગુમાવત. તે મારાં અને રાજ દરબારની લાજ રાખી. તારો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ માલમત્તા લૂંટાઈ ગઈ. શેઠને તેના નોકરો પર શંકા હતી કે કોઈ નોકરે જ આ ચોરી કરી છે. તેણે અક્બરના દરબારમાં જઈ તેની ફરિયાદ કરી. હવે ચોરને શોધવો કઈ રીતે? અકબરે આ જવાબદારી બિરબલને સોંપી. બિરબલે શેઠના બધા જ નોકરોને બોલવ્યા અને કહ્યું; તમારામાંથી જેણે ચોરી કરી હોય તે કહી દો તો તમને માફ કરવામાં આવશે અને કોઈ સજા નહીં થાય. પણ કોઈએ પણ કબૂલ ના કર્યું. બિરબલે એક સરખી લંબાઈવાળી લાકડીઓ મંગાવી દરેક નોકરને એક એક લાકડી આપી અને કહ્યું;તમે આ લાકડી ઘરે લઈ જાઓ અને મૂકી રાખજો. જેણે ચોરી કરી હશે તેની લાકડી બે ઈંચ લાંબી થઈ જશે. બધા લાકડી ઘેર લઈ ગયા. બીજે દિવસે બધા લાકડી લઈ પાછા રાજ દરબારમાં આવ્યા. લાકડીની લંબાઈ માપી તો એક નોકરની લાકડી બે ઈંચ ટૂંકી હતી. બિરબલે તે નોકરને પકડ્યો અને અકબરને કહ્યું; નામદાર, આ નોકરે ચોરી કરી છે. તે નોકરને બરાબર માર પડ્યો. તેણે કબૂલ્યું કે તેણે જ ચોરી કરી હતી. તેણે ઘેર જઈને લાકડી બે ઈંચ જેટલી કાપી નાંખી હતી.. આમ બિરબલે પોતાની ચતુરાઈથી ચોરને પકડી પાડ્યો. અકબર ખૂશ થઈ ગયો અને બિરબલને મોટું ઈનામ આપ્યું. શેઠે પણ ખૂશ થઈને બિરબલને અનેક રત્નો અને હીરાઓ આપ્યા. એક વખત અક્બરના રાજ્યના એક ધનવાન શેઠના ઘેર મોટી ચોરી થઈ. ખૂબ જ માલમત્તા લૂંટાઈ ગઈ. શેઠને તેના નોકરો પર શંકા હતી કે કોઈ નોકરે જ આ ચોરી કરી છે. તેણે અક્બરના દરબારમાં જઈ તેની ફરિયાદ કરી. હવે ચોરને શોધવો કઈ રીતે? અકબરે આ જવાબદારી બિરબલને સોંપી. બિરબલે કહ્યું શેઠના બધા જ નોકરોને બોલાવ્યા અને કહ્યું; તમારામાંથી જેણે ચોરી કરી હોય તે કહી દો તો તમને માફ કરવામાં આવશે અને કોઈ સજા નહીં થાય. પણ કોઈએ પણ કબૂલ ના કર્યું. બિરબલે એક સરખી લંબાઈવાળી લાકડીઓ મંગાવી દરેક નોકરને